આ વર્ષે ઈસરોના ભરપૂર કેલેન્ડર વિશે પૂછવામાં આવતા સિંહે કહ્યું, "અગાઉ અમે મર્યાદિત માનવશક્તિ, મર્યાદિત સંસાધનો સાથે કામ કરતા હતા. અન્ય લોકોને ભાગ લેવાની મંજૂરી આપતા ન હતા. ફંડ ફાળવવામાં આવતું ન હતું. સરકાર મિશન માટે ભંડોળ પૂરું પાડતી ન હતી. તેથી અમે અસહાય અનુભવતા હતા. લોન્ચ વ્હીકલ બનાવવા માટે ઉદ્યોગ ભાગીદારી વધારવા ઉપરાંત, એ તાજેતરના વર્ષોમાં મિશન વચ્ચેનો સમય ઘટાડવા એકીકરણ સુવિધા સ્થાપી છે. હવે, તેને નવી સુવિધામાં એકીકૃત કરવામાં આવ્યું છે અને પછી તેને લોન્ચ પેડ પર લાવવામાં આવ્યું છે. તે સમયે માત્ર અમેરિકા, રશિયા અને યુરોપિયન સ્પેસ એજન્સી મંગળની ભ્રમણકક્ષામાં પહોંચી હતી. મોદી સરકારના કાર્યકાળ દરમિયાન એસ્ટ્રોસેટ નામનું સ્પેસ ટેલિસ્કોપ લોન્ચ કરવામાં આવ્યું હતું, જેના ડેટાનો ઉપયોગ વિશ્વભરના વૈજ્ઞાનિકો કરે છે. સ્વાયત્ત લેન્ડિંગ અને એન્ટી-સેટેલાઇટ હથિયાર અને ફરીથી વાપરી શકાય તેવા લોન્ચ વ્હીકલનું ટેકઓફ પણ દર્શાવવામાં આવ્યું છે. તો, પ્રથમ માનવરહિત ગગનયાન મિશન અને પ્રથમ સૌર આદિત્ય એલ મિશન માટે પણ તૈયારીઓ ચાલી રહી છે, જે આ વર્ષે લોન્ચ થવાની સંભાવના છે. જાણો શું કહ્યું કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ? ચંદ્રયાન પ્રક્ષેપણના સફળ પ્રક્ષેપણ પર કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, તે આત્મનિર્ભર ભારતના મંત્ર પર જીવી રહ્યું છે.